ડેડ મેન ડેડ મેન પ્રયોગશાળામાં ઝાંખો ઝગમગતો પ્રકાશ રેલાઈ રહ્યો છે. પોતાની લેબમાં સાક્ષી તેના ગ્રૂપની સ્ત્રીમિત્રો સાથે ' મેન ડેડ ' ટોનિક કેપસ્યુલ માં ભરી રહી હતી. થોડા જ સમયમાં તેઓ અવકાશયાન દ્વારા આ ટોનિક ને પૃથ્વી પર સ્પ્રેડ કરવાના હતા. પોતાના જીવનના યુવા સમયના ચાલીસ વર્ષો સાક્ષીએ આ અમૂલ્ય ટોનિક બનાવવામાં કાઢ્યા હતા. ખૂબ જ સા ખાસ અને કિંમતી હતું તેનું આ અમૂલ્ય વૈજ્ઞાનિક સંશોધન. આ કેપ્સ્યુલનું રાસાયણ પૃથ્વી પર પડતાં જ પુરુષોનું અસ્તિત્વ નાશ પામવાનું હતું. નું વર્ષ ચાલી રહ્યું છે. મહિલા સશક્તિકરણ, મહિલા અધિકારો સઘળાં દાવા અસ્તિત્વ માં આવી ચૂક્યા હતા. સ્ત્રીઓનું આધિપત્યનું વાતાવરણ સર્જવામાં જવાબદાર હતી સાક્ષી અને તેના જેવાજ અભિપ્રાય ધરાવતી મહિલાઓ. આ સ્ત્રી સભ્યોએ પૃથ્વી પર મેન ડેડ ટોનિક સ્પ્રેડ કરી દીધું હતું. ને ધીમે ધીમે બે જ મહિનામાં સમગ્ર પૃથ્વી પરથી પુરુષોની જાતિ નાશ પામી. પુરુષ વિહોણા સમાજની કલ્પના સાકાર થઈ હતી. માત્ર એક પુરુષ ' શાશ્વત ' જીવંત હતો. સાક્ષી ના ગ્રુપ સાથે અવકાશયાન માં તેને કેદ રખાયો હતો. કારણ ભવિષ્યમાં તેના થકી જ જરૂર પડ્યે પુરુષ અને સ્ત્રી બન્ને પ્રજાતિ ઊભી કરી શકાય. શાશ્વત ખાસ હતો કારણ તેનાં લોહીમાં વૃદ્ધ થવાનું રસાયણ હતું જ નહિ. લેડી વૈજ્ઞાનિક રીમા અને તેની સાથેની અમુક સ્ત્રી મિત્રો સાક્ષીની શોધ ના સખત વિરોધી હતા. તેઓ ના મતે પુરુષ વિના તેમનું જીવન અધુરુ હતું. બન્ને ગ્રુપ વારંવાર ટેકનોયુદ્ધ કરીને એકબીજા ને નુકસાન પહોંચાડતા. આવા એક યુદ્ધ માં રીમા એ શાશ્વત ને સાક્ષીના અવકાશયાનમાંથી છોડાવી લીધો. અને પૃથ્વી પર પોતાની લેબમાં લઈ ગયા. આ બાજુ પૃથ્વીના દ્રશ્ય પર નજર કરીએ. ઘણી મહિલાઓ બિન્દાસ બની જીવન જીવી રહી હતી. મેકઅપ વિના જાહેરમાં ફરતી હતી કારણ તેમને જોનાર દર્શક વર્ગ હતો જ નહિ. ખુલ્લા કપડાં, વેસ્ટર્ન વેર સ્વતંત્ર રીતે પહેરી શકાતા હતા. સ્ત્રીઓનો આયુષ્ય કાળ વધ્યો હતો. પુરુષો વિનાની પૃથ્વી વધુ સુંદર દેખાઈ રહી હતી. રાત્રે ગમે તે સમયે બળાત્કારના પ્રશ્ન વિના આવન જાવન શક્ય બની હતી. ઑફિસમાં કામ માટે, ઘરમાં બધે પુરુષોના સ્થાને રોબોટ હતા અને બધે સ્ત્રી બોસ જ હતા. તેથી મજાક મશ્કરી ના પ્રશ્નો નહોતા ઉદભવતા. પેલી રીમાના ગ્રુપની મહિલા મિત્રો અવારનવાર પુરુષની જરૂરિયાત ઉપર અખબારો, ટીવી માં ભાષણ આપવા પહોંચી જતા પણ પુરુષ વિહોણી સુંદર દુનિયાની કલ્પનાઓમાં રાચતી સ્ત્રીઓની સંખ્યા વધી રહી હતી. સેક્સ સેટિસફેકશન પણ અંદરોઅંદર મેળવવું સામાન્ય બન્યું હતું. ઘણા ઘરોમાં માં, પુત્રી, પૌત્રી,પત્ની, બધા સંસ્કારો સાથે પણ આધુનિક જીવનશૈલીથી જીવી રહ્યા હતા. ઘણા ઘરોમાં રોકટોક વિના, મૂલ્યો